કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પાઠવેલા રાજીનામામાં તેમણે જણાવ્યું છે કે છેલ્લાં અઢાર વર્ષથી તેઓ પક્ષમાં છે રેલવેમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે અત્યાર સુધીમાં સાત બેઠકો યોજાઇ છે અને રેલવે તથા નિતિપંચની વેબસાઇટ પર યોગ્યતા અંગેનો મુસદ્દો તથા કરારનો મુસદ્દો મૂકવામાં આવ્યો છે ઓગણિસ ધારાસભ્યોએ રાજભવનમાં રાજીનામાં સોંપ્યાં છે જયારે બિસહુલાલસિંઘ એદલસિંઘ કંસાના અને મનોજ ચૌધરીએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામાં મોકલ્યાં છે બસ્સો ત્રીસ સભ્યોની મધ્યપ્રદેશ વિધાનસભામાં બે બેઠકો ખાલી છે અને બાવીસ ધારાસભ્યોના રાજીનામાથી સાત ગૃહની સભ્ય સંખ્યા બસ્સો છ થઇ છે તે જોતાં એક સો ચાર સભ્યોની બહુમતિ જરૂરી છે કોંગ્રેસના કોંગ્રેસના એક સો ચૌદ સભ્યોમાંથી બાવીસ રાજીનામાં આપતાં બાણું સભ્યો થયા છે તેને બહુજન સમાજપાર્ટીના બે સમાજવાદી પાર્ટીના એક અને ચાર અપક્ષનો ટેકો છે તેની સામે ભાજપ પાસે એક સો સાત ધારાસભ્યો છે જો કે તેમણે તેને હોળીની શુભેચ્છા બેઠક ગણાવી હતી તેના કારણે ત્રણ હજાર આઠ સો સત્તર લોકોના મોત થયા છે અને એક લાખ દસ હજાર ઓગણત્રીસ જેટલા લોકો તેનાથી અસરગ્રસ્ત છે શૂન્ય રાજીનામાં આપ્યાં છે રસ ધરાવનાર પાસે અભિપ્રાય માંગવામાં આવ્યા છે મુખ્યમંત્રી પી હાલ રેલવે નેટવર્કમાં ખાનગી ટ્રેન સેવા આપતી મથી ગત વર્ષે ચીનનાં વહાનમાં ફેલાયેલો કોરોના વાયરસ એક સો પાંચ દેશોમાં ફેલાયો છે કર્ણાટકમાં પણ ચાર દર્દીઓ પોઝીટીવ છે વિજયને જણાવ્યું કે તમામ જાહેર કાર્યક્રમો રદ કરાયા છે મહારાષ્ટ્રમાં પૂણેમાં કોરોના પોઝીટીવ બે દર્દીઓની હાલત સ્થિર છે કોંગ્રેસ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ માટે શ્રી સિંધિયાને પક્ષમાંથી કાઢી મૂકવાની જાહેરાત કરી અન્ય ઓગણિસ બળવાખોર ધારાસભ્યોએ રાજયપાલને રાજીનામું મોકલ્યું કેન્દ્ર સરકારે કિસાનરેલની સંભાવનાઓ ચકાસવા એક સમિતિની રચના કરી છે તેમાં કૃષિમંત્રાલય તથા રેલવે મંત્રાલયના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે ગીફટ સીટીગાંધીનગરમાં આતંરરાષ્ટ્રીય કક્ષાની હોટલ ગ્રાન્ડ મકર્યુંરીનો આરંભ હાલ હાપા માર્કેટિંગ યાર્ડ માં અંદાજે દસ હજાર ગુણી ની આવક થઈ છે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ મેદાન ખાતે પંચમહાલ દાહોદ અને મહિસાગરની જિલ્લા રોજગાર કચેરીઓના સંયુક્ત ઉપક્રમે આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એક હજાર એક સો પચાસ બ્રાહ્મણો દ્વારા એક લાખ ચંડી પાઠના એક કરોડ શ્લોકનું પઠન પણ થશે તેમના નિબંધસંગ્રહ મોજમાં રેવુ રે માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે ગુજરાતી ભાષાનો ચાલુ વર્ષનો પુરસ્કાર હાસ્ય લેખક અને સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને આપવામા આવ્યો છે મોરવા ગામના સુરેશચંદ્ર નરસિંહ પટેલ ગુણવંત ભાઈ નાથાલાલ પટેલ અને રણછોડ ભાઈ મગનભાઈ વાળંદ આજે સવારે ગોકળપુરા પાટિયા સુધી મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા અને રોડની સાઈડમાં ચાલતા જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી કારનો ચાલક અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી બેઠો હતો અને ત્રણેય સિનિયર સિટીઝન ને ટક્કર મારી હતી જેનાથી ખેડૂતો ખૂબ ખુશ છે અકસ્માત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા ગામના નીવૃતિમય જીવન ગાળતા ત્રણ સિનિયર સિટીઝન માટે બુધવારની સવાર ગોઝારી બની હતી સાત મોર્નિંગ વોકમાં નીકળેલા ત્રણ સિનિયર સિટીઝનને કારે અડફેટે લેતાં ત્રણેયના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા અકસ્માત બાદ કાર ચાલક કાર ઘટનાસ્થળે મૂકી નાસી છૂટ્યો હતો।